મેં પડોશીને પુછયુ: તમે કયો સાબુ વાપરો છો? પડોશી: સંતુપી. હું: એ વળી ક્યો સાબુ? પડોશી: પીઅર્સ પતવા આવ્યો એટલે સંતુરની સાથે ચોંટાડયો છે. પત્ની મંદિર ગઈ અને માનતાનો દોરો બાંધવા માટે હાથ ઉપાડ્યો. પછી કાંઈક વિચારીને દોરો બાંધ્યા વગર જ હાથ નીચે કરી લીધો. પતિ: આ શું? માનતા ન માગી? પત્ની: માગવા જ લાગી હતી કે ઈશ્વર તમારી તમામ મુશ્કેલી દુર કરી દે. પછી વિચાર્યું ક્યાંક હું જ ના ઝપટામાં આવી જાઉ. રઘલો: દુકાને છું… બોલ ને, સું હતું? પત્ની: કઈ નઈ… બાજુ વાળી રિંકલ કોક સાથે ભાગી ગઈ. ટીચર: આ પક્ષીના પગ જોઈને તેનું નામ લખો. ટીચર: તું ફેઇલ. શું નામ છે તારું? પપ્પુ: મારા પગ જોઈને લખી લ્યો. લિપસ્ટિક પણ કેવી ગજબની ચીજ છે. જો હોઠ ઉપર લાગી જાય તો દાંત ખીલી જાય છે.. અને શર્ટ ઉપર લાગી જાય તો દાંત હલી જાય. જવાબ માં એમણે એક જ પ્રશ્ન પૂછ્યો કે, એક ઓવરમાં કેટલા બોલ હોય છે? થયેલા એ કીધું કે એક જ બોલ હોય છે, જે છ વાર નાખવામાં આવે છે. વીસ વરસના થયા ત્યાં લગી બાપા કહેતા હતા, તને આમાં ખબર ન પડે. પચીસ વરસના થયા પછી પત્ની કહેવા લાગ્યા, તમને આમાં ખબર ન પડે. પચાસ વરસના થયા પછી હવે સંતાનો કહેવા લાગ્યા છે કે તમને આમાં ખબર ન પડે. સાલું, હવે તો સમજાતું નથી કે ખબર ક્યારે પડે? લગ્ન પછી પત્ની કેવી રીતે બદલાય છે:- પહેલું વર્ષ: તમે જમી લો, ઘણા સમયથી કંઈ ખાધું નથી. બીજું વર્ષ: રસોઈ તૈયાર છે, તમે હાથ-મોં ધોઇલો હું પીરસવાની તૈયારી કરું છું. ત્રીજું વર્ષ: રસોઈ તૈયાર છે, જ્યારે જમવું હોય ત્યારે કહેજો. ચોથું વર્ષ: મેં રસોઈ બનાવીને તૈયાર રાખી છે. મારે શોપિંગ કરવા જવું છે અને મને મોડું થશે, તમે જમી લેજો. પાંચમું વર્ષ: કહું છું આજે રસોઈ બનાવી શકીશ નહીં, બહારથી લેતા આવજો. છઠ્ઠું વર્ષ: જ્યારે જુઓ ત્યારે ખાવું, ખાવું અને ખાવું. હજી સવારે તો ભરપેટ જમ્યા હોય તેવો નાસ્તો કર્યો છે…!! લગ્ન પછી પતિ કેવી રીતે બદલાય છે:- પ્રથમ વર્ષ: બેબી, ધ્યાન રાખ, ત્યાં એક ખાડો છે. બીજું વર્ષ: અરે સ્વીટી, ત્યાં એક ખાડો છે. ત્રીજું વર્ષ: દેખાતું નથી, ત્યાં ખાડો છે. ચોથું વર્ષ: આંધળી છો? આવડો મોટો ખાડો નથી દેખાતો. પાંચમું વર્ષ: ત્યાં ક્યાં ખાડામાં મરવા જા છો…!! માણસ ચારથી કદી સંતુષ્ટ નથી થતો: મોબાઈલ, ઓટોમોબાઈલ , ટી. વી. , બીવી. કારણ?